વર્સોવાના મુંબઈ જિલ્લામાં નવાઝુદ્દીન સિદ્દીકીનું ઘર હાથીદાંતના મહેલ જેવું લાગે તે માટે સફેદ રંગની થિયરી અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યું છે. બહારથી તમે ટેરેસ, બારીઓ અને બાલ્કની પરની વિગતોનું અવલોકન કરી શકો છો. મુખ્ય દરવાજાના કમાન વાળા સફેદ આરસના પ્રવેશદ્વારને સામાન્ય રીતે લાકડા અને સોડથી શણગારવામાં આવે છે. નવાઝુદ્દીન સિદ્દીકીના ઘરની આસપાસ ઘણી હરિયાળી છે. અભિનેતાને નવરાશનો સમય ઘરની બહારના વિશાળ લૉન પર વિતાવવાના આનંદ આવે છે જે સુંદર કુદરતી દૃશ્યોથી ઘેરાયેલો છે. લીલાસમ લૉન વૈવિધ્યપૂર્ણ વિન્ટેજ બેઠક વિસ્તાર દ્વારા પૂરક છે. પેન્ડન્ટ લાઇટસ રાત્રે બગીચાની સફેદ કમાનોને હાઇલાઇટ કરે છે જે વાતાવરણમાં વધારે કરે છે. જ્યારે તમે બંગલામાં જાવ સો, ત્યારે ડાઇનિંગ એરિયા પહેલી જગ્યા છે જે તમે જુઓ છો. મિનિમલિઝમ ઘરની એકંદર ડિઝાઇન સૌંદર્યલક્ષી છે. રૂમ લાકડાના રાચરચીલું, લટકતી લાઇટ્સ અને મધ્યમાં જૂના જમાનાનું કાળું ઝુમ્મર સાથે વિવિધ સફેદ રંગોને જોડે છે. બંને બાજુ મોટી બારીઓને ઢાંકતા સફેદ પડદા છે. રૂમના ખૂણામાં ડાઇનિંગ ટેબલ ગ્રે-ટોન વાળી હાર્ડવુડ ખુરશીઓ સાથે છે. ડાઇનિંગ વિસ્તારની બાજુઓ પર કેટલાક ઇન્ડોર સોડ પણ છે. નવાઝુદ્દીન સિદ્દીકીના લિવિંગ રૂમમાં જો ચહેરો હોય તો લાવણ્યનું શ્રેષ્ઠ ઉદાહરણ હશે. લિવિંગ રૂમ જે છે જ્યાં તે સૌથી વધુ સરળ અને મૂળભૂત અનુભવે છે. પેન્ડન્ટ લાઇટિંગ, લાકડાના ફર્નિચર, સફેદ રંગના ડ્રેપ્સ અને મોટી બારી સાથે, આંતરિક વસ્તુઓ ઘરની એકંદર થીમને દર્શાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. લિવિંગ રૂમમાં મોટી માત્રામાં કુદરતી પ્રકાશ જગ્યાની હાર્ડવુડ સજાવટમાં આદર્શે અંતિમ સ્પર્શ ઉમરે છે. ઘરની હાર્ડવુડ ડેકોર સાથે નવાઝુદ્દીન સિદ્દીકીએ મનોરંજન ક્ષેત્ર પણ બનાવ્યું છે. ઝુમ્મર માં લાકડાના પેનલિંગથી ઘેરાયેલું દિવાલ-કદનું ટેલિવિઝન છે જેમાં ઑફ-વ્યાહઇટ ડેક ખુરશીઓ, એક ટેબલ અને બાજુમાં મોટી બારીઓ છે. લાકડાના સ્ટોરેજ એરિયા નીચે છે. એક ખૂબદુર્લભ કલાકાર કે જેમણે સફળ ફિલ્મો આપી છે તે નવાઝુદ્દીન સિદ્દીકી છે. હાલમાં તે વિશ્વના સૌથી વધુ વળતર મેળવનારા અભિનેતાઓમાં સામેલ છે. તે ભારતીય સમાજ પ્રત્યેના તેમજ પ્રચંડ આદરને દર્શાવતા ગ્રામીણ વિસ્તારોમાં પરિવાર માટે વારંવાર મોટી રકમ પણ પ્રદાન કરે છે. તેઓ દેશના સૌથી મોટા વ્યક્તિગત કરદાતા છે જે તેમના ટોચના વેતન કૌંસમાં મૂકે છે. નવાઝુદ્દીન સિદ્દીકીની કુલ નેટવર્ક મિલિયન ડોલર અથવા ભારતીય ચલણમાં આશરે કરોડ રૂપિયા છે. તે દરેક સમર્થન માટે માંગણી કરતી અત્યાચારી ફી દ્વારા તેના મોટા ભાગના નાણાં કમાય છે. તે મૂવી બિઝનેસમાં સૌથી વ્યસ્ત અભિનેતા પણ છે.